વહુબેટા; "જય શ્રી કૃષ્ણ મમ્મી, શરદનો ફોન હતો રાત્રે, તમને ને પપ્પાને જય શ્રી કૃષ્ણ કહ્યાં છે. કહેતા હતા નોઇડામા મિટીંગ સક્સેસફૂલ રહી. બે નવા ઓર્ડર મળી ગયા, હવે દિલ્હીનું કામ પતાવી બે ત્રણ દિવસમાં ઘરે આવી જશે. અને મમ્મી, પપ્પા કેમ દેખાતા નથી? મોર્નિંગવોક માટે ગયા કે શું?" ગ્રીષ્માએ પુછ્યું. પુજાપાઠની તૈયારી કરી રહેલા સુધાબેને કહ્યું,"ના બેટા તારા પપ્પા વોકિંગ માટે નથી ગયા, એ તો નડિયાદ ગયા છે વહેલી સવારે. હવે તો બસ આવતા જ હશે. રાત્રે વર્ષા ફઇબાનો ફોન હતો. તે બેંગ્લોરથી નડિયાદ આવ્યા છે. એમની સાસરીમા કોઇ પ્રસંગે, આવતી કાલે અહીંયાથી જ એમની ટ્રેનની રીટર્ન ટિકિટ છે બેંગ્લોરની. તારા પપ્પાએ કહ્યું હું આવું છું તને અમદાવાદ લઈ જવા. આમ પણ નડિયાદ થી અમદાવાદ ક્યાં દુર છે?" "ભલે મમ્મી મને કહેવું હતું ને હું કાર ચલાવા ગઇ હોતને સાથે, પપ્પા એકલા ગયા કાર લઈને?" ગ્રીષ્મા બોલી. સુધાબેને કહ્યું,"ના બેટા તારા પપ્પા ડ્રાઇવર લઇને ગયા છે." "મમ્મી આ વર્ષા ફઇબા કોણ? મેં તો પહેલીવાર નામ સાંભળ્યુ." ગ્રીષ્માએ પ્રશ્ન કર્યો. સુધાબેને પ્રસાદની સામગ્રી સુધારતા જવાબ આપ્યો, "તારા પપ્પાના મામાની દીકરી, બહેન થાય. એટલે શરદના પિતરાઈ ફઇબા ને તારા ફઇજી સાસુ, ખાસ તને મળવાની ઇચ્છાથી જ આવે છે. તમારા લગ્નપ્રસંગે તેઓ આવી શક્યા નહોતા. બેટા સરસ મજાની આદુવાળી ચા અને ગરમાગરમ મેથીવાળા થેપલા તૈયાર કરી રાખજે નાસ્તા માટે." ગ્રીષ્મા એ કહ્યુ,"મમ્મી તમે પુજાપાઠ કરો, હું ઘરની સાફસફાઈ પતાવી નાસ્તો બનાવું છું, અને બપોરના જમણ માટે શું સ્પેશિયલ બનાવું તે પણ કહી દો તો હું અત્યારથી તૈયારી શરૂ કરી શકું, ને કાંઈ જોઇતું કરતું હોય તો માર્કેટથી લઇ આવું." સુધાબહેન કહે,"બેટા શાકભાજી ને બધું તો પડ્યું જ છે. બસ ગુલાબજાંબુ લઇ આવો માર્કેટથી, ૠતુની જેમ વર્ષાફઇબાને પણ ગુલાબજાંબુ બહુ પ્રિય છે." ગ્રીષ્માએ કહ્યુ,"મમ્મી હજુ ઘણો સમય છે. હું ઘરે જ બનાવી દઉં છું. ૠતુદીદી આવે ત્યારે પણ તો અમે બંને બનાવીએ જ છીએને." સવા દશ થવા આવ્યા હતા, ડોરબેલ વાગી. સુધાબેને દરવાજો ખોલ્યો, હરખભેર નણંદને ભેટી પડ્યા. આનંદથી ઘરમાં લાવ્યા. વર્ષાબેન ભાઈ-ભાભીને વરસો બાદ મળીને ખુશખુશાલ થઈ ગયા. સુધાબેને સાદ પાડ્યો,"ગ્રીષ્માબેટા, પપ્પા અને વર્ષાફઇબા આવી ગયા." ત્યાં તો ગ્રીષ્મા પાણીના ગ્લાસ ભરેલી ટ્રે લઇને આવી, ફઇજીને 'જયશ્રીકૃષ્ણ' કહ્યા, પગે લાગી અને સુધાબેનને, વર્ષાફઇબાને ડાઇનિંગ ટેબલ પર નાસ્તા માટે આવવાનું કહી કિચનમા જતી રહી. જીન્સ અને કુર્તીમા સજજ ગ્રીષ્માને જોઈ વર્ષાબેન આશ્ચર્ય સાથે ભાભીને પુછી રહ્યા,"ભાભી કિશોરભાઈને તો આધુનિક પોશાક જરા